નડ્ડાએ જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં તેમણે કરેલા સુધારા અને દેશના લોકતાંત્રિક માળખાને તેમણે આપેલી મજબૂતી માટે શ્રી શેષન હંમેશા યાદ રહેશે. ગઈકાલે ટવિટર ઉપર આ જાહેરાત કરતા શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે આ એકમ પર્યાવરણને અનુકૂળ ઈંધણ તૈયાર કરવાની સાથે-સાથે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બનશે, તથા લોકેશ રાહુલના બાવન રનની મદદથી વીસ ઓવરમાં પાંચ વિકેટે એક સો ચુમોતેર રન કર્યા હતા. વેંકૈયા નાયડુએ સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ જ્ઞાન અંગે લોકોમાં જાગૃતિ કેળવવા તથા તે જ્ઞાનનું જતન કરવા સઘન પ્રયાસો કરવા અનુરોધ કર્યો છે. જવાબમાં બાંગ્લાદેશ એક સો ચુંમાલીસ રન જ કરી શકતા ભારતનો વિજય થયો હતો. સંરક્ષણ મંત્રાલયના ઉપક્રમે ડિફેન્સ કનેક્ટ નામની પરિષદ આજે દિલ્હીમાં યોજાશે. રાજ્યમંત્રી સુલતાન અહમદ અલ જાબેર અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે મળીને ભારતીય પેટ્રોલિયમ ઉદ્યોગ મહામંડળ દ્વારા પ્રસ્તુત ઈન્ડિયા પેવેલીયનનું ઉદઘાટન કરશે. આ પરિષદમાં સંરક્ષણ ક્ષેત્રે નવતર કલ્પનાથી કરાયેલી પ્રગતિની ચર્ચા કરાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ ભાજપે નવી સરકારની રચના કરવાનો ઈનકાર કર્યા પછી શિવસેનાને તેમની સરકાર રચવાની ઈચ્છા અને ક્ષમતા દર્શાવવા કહ્યું છે. ભારત વતી દીપક ચહરે ત્રણ ઓવરમાં સાત રન આપીને છ વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત તેમણે સંરક્ષણ સચિવ કેબિનેટ સચિવ તરીકે પણ કામગીરી કરી હતી. બીજા તબક્કાની ચૂંટણી માટે અઢારમી નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. આરોગ્યમંત્રી આ સંમેલનમાં એકવીસ દેશોમાંથી આવેલા સંસ્કૃત ભાષાના અભ્યાસક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. બાંગ્લાદેશ સામેની નાગપુરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને આખરી ટી-ટવેન્ટી ક્રિકેટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે ત્રીસ રનથી વિજય મેળવીને એકવીસમી શ્રેણી જીતી લીધી છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે શ્રી શેષને ચૂંટણી તંત્રને મજબૂત બનાવવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી હતી. મુખ્યમંત્રી રઘુબરદાસ જમશેદપુરપૂર્વ બેઠક પરથી અને ઝારખંડ પાર્ટીના વડા લક્ષ્મણ ચક્રધરપુર બેઠક પરથી ચૂંટણી લડશે. દરમ્યાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે, તેમનો પક્ષ કોઈપણ રીતે પોતાનો મુખ્યમંત્રી બનાવશે. ગઈકાલે દિલ્હીમાં સંસ્કૃત વિશ્વ સંમેલનમાં સંબોધતા તેમણે કહ્યું કે પ્રાચીન ગણાતી સંસ્કૃત ભાષા આજના સમયમાં પણ પ્રસ્તૃત છે અને ઉપયોગી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધાનકર પણ આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજના પદવીદાન સમારંભમાં બે હજાર સાત સો વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત થશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અબુધાબીમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પ્રદર્શન અને પરિષદમાં મંત્રીઓના સત્રમાં ભાગ લેવા પહોંચ્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વિશ્વમાં નેવું ટકાથી વધુ લોકો બિન આરોગ્યપ્રદ હવા શ્વાસોચ્છવાસમાં લે છે. ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની છણાવટ માટે ખાસ વ્યવસ્થા કરાશે. જેથી આ યોજનાનો ફાયદો લેવાથી કોઈ ખેડૂત વંચિત રહે નહીં. આ યોજના દ્વારા ઓછુ પ્રદૂષણ કરનારા તથા નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને નાણાકીય ફાયદો થશે. સમગ્ર રમઝાન દરમિયાન રોજા વિશેષ નમાઝ કુરઆન શરીફની તિલાવત વગેરે ઈબાદતો બાદ રમઝાન ઈદ આવતા મુસ્લિમ બિરાદરો ઈદની આગવી ઉજવણી કરે છે. શ્રી જાવડેકરે કહ્યું કે આ વર્ષે હવાના પ્રદૂષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.